રાહુલની અને સભામાં હાજર અન્ય કેટલાયની આંખોમાં આંસુ આવી ગયા. એક વખત એક બાળકે શ્રી. પ્રમુખ સ્વામીને પૂછ્યું, "બાપા, તમને સૌથી વધારે શું ગમે? સ્વામી બાપાએ જવાબ આપ્યો,"તમે સૌ ભજન ગાવ અને ભક્તિ કરો, તે મને બહુ ગમે. તમે સૌ બાળમંડળમાં આવો અને પ્રાર્થના કરો, તે મને બહુ ગમે. તમે સૌ ખંતપૂર્વક શાળાનો અભ્યાસ કરો, તે મને બહુ ગમે. મને આવું બધું બહુ જ ગમે." સ્વામીશ્રી હંમેશા એમના ભક્તોને ઘરે પધરામણી કરતા. તેઓ ઘણા વૃદ્ધ થયા પછી જ કારનો ઉપયોગ કરતા થયા. બાકી તો તેઓ શહેરમાં હોય ત્યારે રીક્ષા, અને ગામડામાં હોય ત્યારે ગાડામાં જ મુસાફરી કરતા. તેઓ ઘણી વાર લાબું અંતર ચાલીને જતા. એક દિવસ તેઓ અમદાવાદમાં એક ભક્તને ઘરે જઈ રહ્યા હતા. શહેરના ટ્રાફિકમાં રીક્ષા ઘણી ધીમી ચાલતી હતી. ત્યાં અનુપ નામના એક બાળકે એમને જોયા અને તેમના દર્શન કરવા રીક્ષાની સાથે-સાથે દોડવા લાગ્યો. સ્વામીશ્રીએ રીક્ષા ઉભી રખાવી અને અનુપને બેસાડી દીધો. અનુપે એમને વિનંતી કરી કે તેઓ કોઈક દિવસ તેના ઘરે પણ આવે. સ્વામીબાપા કહે, "કોઈક દિવસ શા માટે? ચાલ, આપણે અત્યારે જ જઇએ!" એમણે રીક્ષા અનુપના ઘરે લેવડાવી. પછી એમણે અનુપને બીજે દિવસે મંદિરે આવીને પ્રસાદ લઇ જવા કહ્યું. આપણે માની શકીએ કે આવા મહાન સંત એક નાનકડા બાળકની વિનંતી તરત જ સ્વીકારી લે, અને એમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચેથી પણ તેના ઘરે જાય? આવું બધું તો સ્વામીબાપા માટે એકદમ સાહજિક હતું! સ્વામીબાપા હંમેશા શાકાહારી ખોરાક ખાવાનો જ ઉપદેશ આપતા. એક વાર લંડનના એક યુવકે એમને જણાવ્યું કે ડોક્ટરે એને ઈંડાં ખાવાનું કહ્યું છે. સ્વામીશ્રીએ એને કહ્યું, "ડોકટર અને મિત્રો તો તને એવું જ કહેશે, પણ મારી સામે જો, હું માંસાહાર નથી કરતો તેમ છતાં હું જીવું છું ને? કોઈ મરતું નથી . આપણા ઋષિઓ હિમાલયમાં હજારો વર્ષોથી દિગંબર અવસ્થામાં રહે છે. પશ્ચિમ સંસ્કૃતિ આપણને બદલી નાખવા માંગે છે. તેઓ આપણને આપણી સંસ્કૃતિથી વિમુખ કરી દેવા માંગે છે. તેથી જ તેઓ આવી સલાહ આપતા હોય છે. ખાવા માટે ઘણી ચીજ છે. દૂધ અને ઘી ખાઓ, તે ઈંડાં કરતાં વધારે પૌષ્ટિક છે, અને શરીરને મજબૂત બનાવે છે. કોઈ તમારા શરીર પર કાપો મૂકે તો તમને દુઃખ નહીં થાય? આ પ્રાણીઓને વેદના નહીં થતી હોય? આ યુરોપિયનો આપણા દેશમાં એકસો પચાસ વર્ષ રહ્યા, છતાં એમણે આપણા રીત રિવાજ અપનાવ્યા? તો સોગંદ લે કે આપણે આપણા વારસાનું રક્ષણ કરવાનું જ, એમણે તે યુવકની જમણી હથેળીમાં પાણી મૂકી તેની પાસે ક્યારેય માંસાહાર ન